પરંતુ જો તમે મારા ગ્રાહક નથી, તો તમારે નોટો બદલવા માટે ઓળખનો પુરાવો આપવો પડશે કારણ કે અમારે આંકડા જાળવવા પડશે. " અન્ય બેંકના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, "રિઝર્વ બેંક તરફથી માર્ગદર્શિકા અંગે કોઈ સ્પષ્ટતા નથી. અમે વિવેકપૂર્ણ પગલા તરીકે વિગતો એકત્રિત કરી રહ્યા છીએ કારણ કે અમને ખબર નથી કે નીતિ ક્યારે બદલાશે અને અમને ડેટા સબમિટ કરવાની જરૂર પડશે. " આ દરમિયાન, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર ગ્રાહકની ક્વેરીનો જવાબ આપતાં ગ્રાહકે પૂછ્યું કે " શા માટે ફોર્મ આપી રહી છે અને તેની આપલે કરવા અને અરાજકતા ઊભી કરવા માટે આઈડી પ્રૂફ કેમ લઈ રહી છે?" બેંક કેર્સ સર્વિસ મેનેજરે લખ્યું હતું કે., "બેંકની ડ્યુ ડિલિજન્સ પ્રક્રિયાના ભાગ રૂપે, અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે નોટો બદલવા માટે પ્રૂફની સ્વ-પ્રમાણિત નકલ સાથે રિક્વિઝિશન સ્લિપ ભરો. " બીજી તરફ, પંજાબ નેશનલ બેંક અને બેંક ઓફ બરોડા સહિતની જાહેર ક્ષેત્રની બેંકો કોઈ ઓળખનો પુરાવો અથવા ફોર્મ ભરવા માટે પૂછતી નથી. તે જ પ્રમાણે, બેંક ઓફ બરોડા સામાન્ય લોકો પાસેથી નોટ બદલવા માટે ટેન્ડરર પાસેથી કોઈપણ ફોર્મ ભરવા અથવા ઓળખના પુરાવાની નકલ માંગતી નથી.દેશભરના મહાનગરો અને નગરોની ઘણી શાખાઓમાં નોટો બદલવા માટે લોકોની ભીડ જોવા મળી હતી. બેંકિંગ પ્રક્રિયાઓ અનુસાર, જો કોઈ ગ્રાહક રોકડ જમા કરાવવા માંગે છે, તો તેણે સામાન્ય કેસોમાં વિનંતી ફોર્મ ભરવાનું રહેશે. ઈ-કોમર્સ અને સુપર માર્કેટ: અહેવાલો સૂચવે છે કે લોકો એર કંડિશનર જેવી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ પણ મોટી ખરીદી માટે બે હજારની નોટોનો ઉપયોગ કરી રહ્યા છે. જો કે, નાની દુકાનો જે બે હજારની નોટ સ્વીકારવાનો ઇનકાર કરી રહી છે તેઓ ગ્રાહકોને એપ્સ દ્વારા અથવા નાના મૂલ્યોમાં રોકડ ચૂકવણી કરવાનું કહે છે. નાની દુકાનોએ બે હજાર રૂપિયાની નોટ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો કે તેમાં ફેરફારની અછત છે. દેશભરની વિવિધ દુકાનોમાં બે હજારની નોટને 'ના' કહેતી નોટિસો લગાવવામાં આવી છે. બે હજાર ની નોટોને અન્ય મૂલ્યોની નોટોમાં બદલીને કોઈપણ બેંકમાં એક સમયે વીસ હજારની મર્યાદા સુધી કરી શકાય છે. કોઈ વ્યક્તિ જુદી જુદી શાખાઓમાં જઈને નોટો બદલી શકે છે પરંતુ તેની પાસે હજુ પણ રોકડ અને એક દિવસમાં પચાસ હજાર રૂપિયાથી વધુની ડિપોઝિટ હશે તો તે સરકારી એજન્સીઓ દ્વારા તપાસને આમંત્રણ આપી શકે છે. સોનું: મુંબઈ અને અન્ય મહાનગરોમાં સોનાના ઝવેરાતની દુકાનોમાં બે હજાર રૂપિયાની નોટો સાથે સોનાની ખરીદીમાં ઉછાળો જોવા મળ્યો હતો. ગોલ્ડ જ્વેલરી ખરીદવા માટે બે હજારની નોટનો ઉપયોગ કરનારા ગ્રાહકોની સંખ્યામાં છેલ્લા બે દિવસમાં તીવ્ર વધારો થયો છે. આ વલણ આગામી થોડા અઠવાડિયામાં ચાલુ રહેવાની ધારણા છે. બાદમાં ગ્રાહક દ્વારા સોનું ગીરવે મૂકી શકાય છે અને તેને કાયદેસર બનાવવા માટે લોન તરીકે સોનાની કિંમતના નેવું ટકા વધારો કરી શકાય છે, એમ બુલિયન બજારના સૂત્રએ જણાવ્યું હતું.